ઋણાનુબંધ: "સમય સાથે બધું ભૂલાઈ જશે" વર્ષોથી આ વાક્ય ટેપ રેકોર્ડર ની જેમ માહી ના મનમાં વાગ્યા કરતુ હતું. બે વર્ષ થઈ ગયાં હતા. પણ હજી માહી ને એ નહી સમજાતું હતું કે ભૂલવું તો કોને? સમય ને, કે એ સમય ને યાદ બનાવનાર વ્યક્તિ ને? જો એ સમય ને ભૂલવાની વાત આવે તો વળી નવો પ્રશ્ન ઊભો જ છે. કયો સમય ભૂલું? એની સાથે વિતાવેલા એ પ્રણય ના સોનેરી દિવસો ને ભૂલું? પ્રેમ થી મહેકતી વાતો ની એ સુગંધ ને ભૂલું? કે એક બીજાને ક્યારેય ન ભૂલવના વચનો આપ્યા હતા એ ભૂલી જાય? કે એના પછી નો સમય ભૂલું? કે જેમાં કચડ્યો એક વિશ્વાસ, બંધ પડ્યું લાગણીથી ધબકતું હૃદય, અંધકાર આવ્યો એ સ્વપનો સજાવતી આંખો માં, અને હારી ચૂકેલો પ્રેમ. માહી આ જ બધું પોતાને પૂછ્યા કરતી. કારણ કે પ્રેમ માં એણે સારો અને ખરાબ બંને સમય જોયેલો હતો, પરંતુ અંતે એણે આ રીતે પ્રેમથી છૂટું પડવું પડશે એ વિચાર્યું ન હતું. વાત તો લગ્ન સુધી પહોંચી ગઈ હતી. પ્રેમ ની મમ્મીએ તો શગુનમાં સોનાનું સરસ એવી ડીઝાઇન વાળું કડું પણ પહેરાવી દીધું હતું. આટલા સ્વપનો જોયા પછી એ વ્યક્તિ ને ભૂલી જવાની વાત આવે તો જાણે જીવતા જાગતા શરીર ને શ્વાસ વગર રહેવાનો શ્રાપ ના મળી ગયો હોય, એવો જ અનુભવ થાય ને. માહી પોતાના મન માં જોર-જોરથી ચિલ્લાઈ ને આ પ્રશ્ન પોતાની જાત ને જ પૂછ્યા કરતી, "કોને ભૂલું? સમય ને કે વ્યક્તિ ને?" માહી આ જ બધા વિચારોના વમળમાં ઘેરાયેલી હતી અને અચાનક એનાં ડ્રાઈવરે જોરથી બ્રેક મારી. માહી ને પણ જોરદાર ધક્કો લાગે છે અને આગળ તરફ ધકેલાઈ જાય છે. સાથે-સાથે જાણે ભૂતકાળના તોફાનમાંથી બહાર આવી અને ભાનમાં આવી એવું લાગ્યું.. પરંતુ ભૂતકાળના પ્રશ્નો તો હજી ત્યાંના ત્યાં જ છે, પરંતુ અત્યારે આ શું થયું? માહી એ ડ્રાઈવર ને પૂછ્યું,"શું થયું અમિતભાઈ? આગળ અકસ્માત થયો હોય તેમ લાગે છે." "હા મેડમ, પરંતુ ભીડ વધારે છે. કશું જોઈ શકાતું નથી." ડ્રાઈવર એ જવાબ આપતા કહ્યું. માહી ઝડપથી કારમાંથી ઉતરે છે અને જોવે છે કે લોકો બસ તમાશો જોવા ઊભા હતા. ભીડ ની વચ્ચે એક સ્ત્રી બેભાન અને લોહીલુહાણ અવસ્થામાં નિ:સહાય બનીને પડી હતી. આ જોઈ ને માહી ને ખૂબ ગુસ્સો આવ્યો અને એના ડ્રાઈવરને ઝડપથી બૂમ પાડે છે, અને એ અકસમાતગ્રસ્ત સ્ત્રીની નજીક જાય છે. "જલ્દી કરો. આમને આપણી કારમા લઇ લો અને હોસ્પિટલ ચાલો,જલ્દી.